પોતાની મા રાજમાતાને દોડીને આવતાં જોઈ મહારાજને ખુબ જ નવાઈ લાગી. દરેક જોનારની આંખો વિસ્મિત બની ગઈ. દરેકના મનમાં સવાલ ઉદ્દભવ્યો કે,"આનું એવું કયું રહસ્ય હશે? રાજમાતા શયનકક્ષથી દોડતા આવ્યાં તે જોઈને ખુબ જ નવાઈમાં મહારાજ બોલ્યાં,"અરે માતે, આપ કેમ આટલી બધી તકલીફ ઉઠાવી રહ્યાં છો? મહેલમાં હું હાજર હોય ત્યારે આપણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બધું જ સલામત છે." રાજમાતાં બોલ્યાં,"બેટા મને આ શબ્દો ખુબ જ પરિચિત લાગ્યાં એટલે જ તો ભૂતકાળ નજ઼ર સામે આવતાં હું દોડી આવી, મારે આ ચીખ પાડનારને જોવો છે." "ના,ના રાજમાતા એવું કાંઈ નહીં." મહારાજે મનમાં વિચાર્યું જે ભૂતકાળને યાદ કરી માતા ડરી ગયાં છે, એટલે શાંત્વના આપતાં બોલ્યાં," જૂઓ આ તો આપની કુંવરીબાનો જીવ બચાવનાર યુવાન દર્દથી બેભાન અવસ્થામાં ચીસ પાડી હતી." રાજમાતાં કોઈની પણ વાત માન્યાં વગર સીધા જ તે યુવાનના કક્ષમાં ગયાં. જ્યાં વનકુંવરી વસુંધરા તેણે દવા પીવડાવી રહી હતી. રાજમાતાને જોઈ તેણે ઉભી થઈને આદરપૂર્વક નમન કર્યા. રાજમાતાએ પાસે જઈને ખુબ જ ધારીને તેને નીરખ્યો. બેહોશ જુવાનના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. ચાલાક વસુંધરાને કાંઈક યાદ આવતાં બોલી,"રાજમાતાં આ બેભાનમાં કાંઈક બે શબ્દો બોલ્યો જે મને કાંઈ સમજાયાં નહીં. આપે સાંભળ્યા હતાં તે શબ્દ?" રાજમાતા ચમકી ગયાં. તેમનાં આ હાવભાવ ચતુર મનને વાંચનારી અનુભવી વસુંધરાથી છાના ન રહ્યાં. તે વઘુ દાણો દબાવી આ રાજ જાણવાં નવો સવાલ કરે તે પહેલાં જ મહારાજ અંદર આવીને બોલ્યાં,"રાજવૈદ્યજી આવી ગયાં છે, એટલે આ જુવાનની પુરી તપાસ કરાવી લેજો વસુંધરા." વસુંધરા નજર્યું ઢાળી બોલી,"જો હુકુમ મહારાજ." "રાજમાતાં હવે આપ શયનકક્ષમાં પધારો." ચિંતા કરતાં મહારાજ બોલ્યાં,"આપ આજે દિવસે પણ સૂતાં નહીં." રાજમાતાએ તે જુવાનનો હાથ પકડેલો હતો, તેમણે કાંઈક પોતાનાપણાનો અહેસાસ થતો હતો. તેમની નજ઼ર સામે એ નાનો બાળક જે મા કહીને છાતીએ વળગતો હતો, તેનો હાથ પકડીને તે સહેલાવતાં હતાં. તે સ્મૃતિપટમાં સંઘરાયેલી યાદો બહાર છલકી રહી હતી. રાજમાતા સ્થીર રહેતા વસુંધરા બોલી,"હાં રાજમાતાં આપ આરામ કરો. હું આ જુવાનની તમામ દવાઓ સારવાર બાબતની સૂચના રાજવૈદ્યજી પાસેથી મેળવીને કાળજીપૂર્વક દવા પીવડાવીશ." જાણે રાજમાતાં હાથ છોડી રહ્યાં હતાં તેમ આ યુવાન હલતો હતો. જેવો હાથ છૂટ્યો કે તરત વીર બેહોશીમાં બોલ્યો, વસુંધરાને ફક્ત મા શબ્દ સંભળાયો જયારે રાજમાતાને એ પૂરો શબ્દ સમજાયો, પણ તે જાણે બીજા કોઈને જણાવવા ન માગતાં હોય તેમ તેનાં માથે ફરી હાથ ફેરવીને